આરોપી અંગે ડીસીપીએ કહ્યું હતું કે, ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ ડોડીયા તેમજ મેહુલ જસાણી દ્વારા ગોડાઉન ભાડે રાખી આયુર્વેદિક બોટલના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતું. આરોપી લકધીરસિંહ જાડેજા દ્વારા જથ્થો ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ ડોડીયા તેમજ મેહુલ જસાણીના ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવતો હતો. જે માલ આરોપીઓના ગોડાઉન ખાતેથી અશોક ચૌહાણ તેમજ જયરાજ ખેરડીયા નામના વ્યક્તિ આઇસર ગાડીમાં ભરી રાજકોટ ખાતે લાવ્યા હતા. ત્રણની ધરપકડ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રીજી જુલાઈ ના રોજ શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલા પાર્કિંગમાંથી, હુડકો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગ સહિતની જગ્યાઓ પરથી જેટલા ટ્રકમાં ભરેલા નશા યુક્ત શંકાસ્પદ સિરપ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધર્મેન્દ્ર ડોડીયા અને રૂપેશ ડોડીયા નામના બે ભાઈઓ તેમજ મેહુલ જસાણી, લકધીરસિંહ જાડેજા, અશોક ચૌહાણ અને જયરાજ ખેરડીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાણઘાતક આઇસો પ્રોપાઈલ આલ્કોહોલનો થતો હતો ઉપયોગ આરોપીઓ દ્વારા હેલ્થકેર આયુર્વેદિક હર્બલ પીણામા ઈથાઈલ આલ્કોહોલ તેમજ આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ ઉમેરવામાં આવતું હતું. આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ અખાદ્ય છે. જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે તેમજ હેન્ડ્સ સેનેટાઇઝરની બનાવટમાં થતો હોય છે.